એપ સાથે, વપરાશકર્તાઓને તેમના હોલ્ડિંગ વિશે સૂચના આપવામાં આવશે અને તેઓ તેમના ક્રિપ્ટો વોલેટ્સ, ટ્રેડિંગ ચાર્ટ્સ અને ઓપન ટ્રેડ્સ પર નજર રાખી શકશે. વઝીરએક્સ એપ ઇન્ડિયા ભારતમાં ખૂબ જ લોકપ્રિય ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ અને એપ્લિકેશન છે. હવે કંપનીની માલિકી ધરાવે છે, તેથી તે થી માં સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે મફત છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ છે અને તેમાં તમને વેપાર કરવા, સંપત્તિ જોવા અને ક્રિપ્ટો મોકલવા અથવા ખરીદવાની જરૂર પડશે તેવી તમામ સુવિધાઓ છે. તેમની પાસે, અને માટે એપ્લિકેશન છે. ઝડપી ટ્રાન્ઝેક્શન સ્પીડ અને એક ઉત્તમ વપરાશકર્તા અનુભવ સાથે ભારતીય-કેન્દ્રિત એપ્લિકેશન હોવા પર ગર્વ અનુભવે છે. એપ્લિકેશન ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ હાજરી ધરાવે છે, પરંતુ તે યુએસ સ્થિત કંપની છે. તેમની મોબાઇલ એપ્લિકેશનને ઉપયોગમાં લેવા માટે સૌથી સરળ પૈકીની એક તરીકે ઓળખવામાં આવે છે, જે સરળ અને સુરક્ષિત ક્રિપ્ટો વ્યવહારો કરવા માંગતા નવા રોકાણકારો માટે યોગ્ય છે. એપ વપરાશકર્તાઓને ભાવ ચેતવણીઓ, સમાચાર અને શીખવાની તકો સાથે બજારો પર અદ્યતન રાખવા માટે ઉત્તમ છે. એપ્લિકેશન ક્રિપ્ટો ખરીદવા, વેચવા, વેપાર કરવા અને કન્વર્ટ કરવાની અને ટૂંકા શૈક્ષણિક વીડિયો જોઈને પુરસ્કારો મેળવવાની તકો પણ આપે છે. ભારતીયો એકાઉન્ટ સેટ કરી શકે છે અને દરેક મોટા એપ સ્ટોર પર મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકે છે. એપ્લિકેશન ભારત એ ઓસ્ટ્રેલિયન ક્રિપ્ટો એક્સચેન્જ છે જે વપરાશકર્તાઓને સરળ અને ભવ્ય મોબાઇલ સોલ્યુશન ઓફર કરે છે. એપ્લિકેશન વપરાશકર્તાઓને તમામ એકાઉન્ટ સુવિધાઓને ઍક્સેસ કરવાની, તેમના મોટા સિક્કાની પસંદગીમાંથી એકીકૃત વેપાર કરવા અને તમામ કિંમતના ચાર્ટ અને ડેટા જોવાની મંજૂરી આપે છે. દેશની બ્લોકચેન ઉદ્યોગ સંસ્થા બ્લોકચેન ઓસ્ટ્રેલિયા તરફથી કેટલીક શ્રેષ્ઠ સુરક્ષા સુવિધાઓ અને દેખરેખ સાથે ક્રિપ્ટો ટ્રેડિંગ માટે એ એક શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન છે. ક્રેકેન એપ ઈન્ડિયા ક્રેકેન એ યુ. એસ. માં સ્થપાયેલ અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જેની પાસે ઉત્કૃષ્ટ મોબાઇલ એપ્લિકેશન છે. ક્રેકેને પછી ભારતીય બજારમાં પોતાને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું, જ્યારે ક્રિપ્ટો ફર્મ્સ માટે બેંકિંગ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. એપ્લિકેશન સાહજિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં ટ્રેડિંગ, મોનિટરિંગ અને તમારી ક્રિપ્ટો એસેટ મોકલવા માટે સરળ સાધનો છે. તેમની પાસે એવા વપરાશકર્તાઓ માટે ક્રેકેન પ્રો એપ્લિકેશન છે જેમને ટ્રેડિંગ ક્રિપ્ટો વિકલ્પો જેવી વધુ અદ્યતન સુવિધાઓની જરૂર છે. બ્રાન્ડ ભારતમાં ક્રિપ્ટો અધિકારોની હિમાયત કરવા માટે લડત આપી રહી છે, અને તેમની એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે મોટી સંખ્યામાં ડિજિટલ કરન્સીનો વેપાર કરવાનું સરળ બનાવે છે. તેઓ ઝડપી ગ્રાહક સેવા મેળવવા પર ગર્વ અનુભવે છે, જે હિન્દીમાં મદદની જરૂર હોય તેવા ભારતીય રોકાણકારો માટે